ઉનાળાના આકર દિવસો આવ્યા ને મંગળપરીએ ખ ખંભે થેલ ભેરવેલી સેહેરની વાટ પકડી. વાઘજી પટેલે તો કહ્યું પણ ખરું કે, "રહેવા દ્યો બાવાજી, રહેવા દ્યો. મીઠાં ઝાડનાં મૂળ ખો ખોદવાં રહેવા દ્યો. તમે શહેરમાં ઉઘરાણ કરીને આવ્યા, એને હજી વરસ નથી થયું. આમ એક જ વરસમાં પાછા જા જાશો તો તમારું માન નહિ રહે. શહેરમાં માણસો દોડાદોડીમાં પડ્યા હોય, ન્યાં તમે બે-ત્રણ દિવસના ધામા નાખો એ ઠીક નહિ. કોઈ મોઢેં તો નહિ કહે, પણ ગોપાળજી શેઠના દીકરા વહુ નારાજ તો થાશે જ." "હવે, ગોપાળજી શેઠના છો છોકરાવ નાના હતા ત્યારે મારી માએ માએ એ છોકરાવને તેડી-તેડીને રમાડ્યા છે. આજે શેઠને સરખાઈ છે, તો વરસે દહાડે મને પાંચ-પચીસ રૂપિયા આપે, કે મારા છોકરાવને પહેરવા થોડાક ગાભા આપે, એમાં નવાઈ શું કરે છે?" "નવાઈ તો કોઈ કરતું નથી, પણ તમારી માએ શેઠના છોકરાવને રમાડ્યા એટલે ન્યાં વારે-વારે જાવાનો તમારો અધિકાર નથી થઈ જાતો. શેઠે નવું મંદિર બંધાવી દીધું છે, તો ભોળાનાથની પૂજામાં જીવ પરોવો ને. ગામમાંથી જેટલું મળે છે, એટલા એટલાથી સંતોષ માનો. થાય એટલી મહેનત મજૂરી કરશો તો ક્યાંય હાથ લાંબો કરવા નહિ જાવું પડે." વાઘજી પટેલે જરા આકરા થઈને કહ્યું. મંગળપરીએ જવાબ આપવાના બદલે ચાલવાની ઝડપ વધારી દીધી, એવા ડરથી કે ગામના બે-ચાર મોટા માણસો આવી પર ચડશે ને વાઘજી પટેલની વાતને વાજબી માની લેશે, તો મને રોકી લેશે. છતાંય વાઘજી પટેલે ઊંચા અવાજે કહ્યું, "હજી કહું છું મહારાજ, સુખે દુઃખે ગામમાં પડ્યા રહો ને ભગવાનનું ભજન કરો." પરંતુ મંગળપરીને ગામમાં પડ્યા રહેવામાં રસ નહતો. એમનું મન ભોળાનાથની પૂજામાં અને ભજનમાં લાગતું નહોતું. એમનું ગણિત એવું હતું કે, "ગામના લોકો મંદિરમાં ધરી-ધરીને શું ધરવાના? મૂઠી-મૂઠી ઘઉં કે ચોખા જ ને? વળી, દુકા દુકાળનો રાક્ષસ હજી મોં ફાડીને ઊભો છે. ભગવાનના ભરોસે ક્યાં સુધી રહેવું? મારે પણ પુરુષાર્થ કરવા કરવો જોઈને? અમદાવાદ સુધીનો એક આંટો મારી આવું, ને ગોપાળજી શેઠ અને એના ઓળખીતા પાસેથી થાય એટલું ઉઘરાણું કરી આવું. રોકડા પૈસા મળે ને છોકરાવના પહેરવા કપડાં મળે, ખાવા-પીવાનું બારોબાર થઈ જાય, ને ફરવા મળે એ લટકામાં." એક કાંકરે ચાર પક્ષી મારવા નીકળેલા મંગળપરીને વાઘજી પટેલની વાત વાજબી ન લાગી. બે વરસ પહેલાં ગોપાળજી શેઠે ગામમાં શંકરનું નવું મંદિર બંધાવી આપ્યું હતું. ત્યારે ગામ લોકો રાજી-રાજી થઈ ગયા હતા. ગામલોકોએ માન્યું હતું કે, "શેઠ ભલે ગામ છોડ્યું, પણ સંબંધ છોડ્યો નથી. હવે આપણાથી સરખાં દેવદર્શન થશે અને મંગળપરીનો જીવ આ નવા મંદિરમાં ચોંટશે.